ક્રીમ અને બ્રાઉન શેડ્સ, જટિલ લાઇટ ફિક્સર અને રોયલ સીડી સાથે ડિઝાઇન કરાયેલ, તેમના બંગલા 'શિવશક્તિ'માં અજય અને તેના પરિવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં સૌથી સુંદર પૃષ્ઠભૂમિ છે. અજયે તેનો જુહુ બંગલો કરોડમાં ખરીદ્યો હતો. અજય દેવગનના ઘર વિશે વધુ જાણવા માટેલેખ વાંચો, ચિત્રો જુઓ અને તેની અદભૂત મિલકતની અંદરની ઝલક મેળવો. અજય દેવગન ઘરનું સરનામું અજય દેવગનનું ઘર 'શિવશક્તિ' તરીકે ઓળખાય છે અને તે મુંબઈના પોશ વિસ્તારોમાંના એક જુહુમાં આવેલું છે. અમિતાભ બચ્ચન,હૃતિક રોશનઆલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને ધર્મેન્દ્ર જેવી ઘણી જાણીતી હસ્તીઓ જુહુમાં રહે છે, જે સેલિબ્રિટીઓ માટે ભવ્ય મિલકતોની માલિકીનું હોટસ્પોટ બનાવે છે. અજય દેવગન મુંબઈ ઘરનું સરનામું/, શીતલ એપાર્ટમેન્ટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ચંદન સિનેમાની સામે, જુહુ, મુંબઈ કાજોલ અને અજય દેવગન ઘરની અંદર કાજોલ અને અજય દેવગનના સુંદર નિવાસસ્થાનને એક કારણસર 'શિવશક્તિ' કહેવામાં આવે છે, કારણ કે અજય દેવગન ભગવાન શિવનો ભક્ત છે. તેમના લાર્જર-ધેન-લાઇફ હાઉસનું મુખ્ય આકર્ષણ ક્રીમ અને સફેદ રંગની દિવાલો, સર્પાકાર દાદર, લાકડાના ઉચ્ચારણ, લાંબી લાઈટ ફિક્સર, જગ્યા ધરાવતી બાલ બાલ્કનીઓ અને ન્યૂનતમ છતાં સ્ટાઇલિશ આંતરિક સજાવટ છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ કાજોલ દેવગન દ્વારા શેર કરાયેલ પોસ્ટ પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરવા માટે સારી રીતે પ્રકાશિત અને ગરમ બાલ્કની અજય દેવગન હાઉસની અંદર પ્રવેશ અને લોબી જ્યારે તમે અજય દેવગનના ઘરના ભવ્ય અગ્રભાગમાં પ્રવેશો છો, ત્યારે તમને એક વિશાળ પ્રવેશદ્વાર દ્વારા આવકારવામાં આવે છે જે ઘરની વિશેષતાઓમાંની એક છે. પથ્થરની દિવાલોથી ડિઝાઇન કરાયેલ, મહેલ જેવું પ્રવેશદ્વાર ગામઠી વાતાવરણ અને ઘરેલું અનુભૂતિ આપે છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ ન્યાસા દેવગન દ્વારા શેર કરાયેલ પોસ્ટ દરવાજા અને બારીઓ માટે ભવ્ય લાકડાના ફ્રેમ સાથે પથ્થરની દિવાલો જેમ જેમ તમે આગળ વધો છો અને સર્પાકાર દાદર પર થોડા પગથિયાં ચઢો છો, તમે પહેલા માળે એક ભવ્ય લોબીમાં પ્રવેશો છો. પ્રથમ માળનું ચળકતું અને સફેદ માર્બલ ફ્લોરિંગ તમને એવું અનુભવે છે કે તમે શાબ્દિક રીતે સ્વર્ગમાં સીડી લઈ ગયા છો. ઉપરાંત, અર્ધ-તીક્ષ્ણ બ્લાઇંડર્સથી ઘેરાયેલી, કાચની વિશાળ બારીઓ જે છતથી ફ્લોર સુધી ચાલે છે તેમાં લાકડાની પેનલ હોય છે અને યોગ્ય સૂર્યપ્રકાશ સારી રીતે વેન્ટિલેટેડ ઘરમાં પ્રવેશવા દે છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ કાજોલ દેવગન દ્વારા શેર કરાયેલ પોસ્ટ સ્વર્ગની સીડી ફેન્સી લોબી તરફ દોરી જાય છે અજય દેવગન હાઉસની સર્પાકાર સીડી સર્પાકાર દાદર કાજોલ અને અજય દેવગનના ઘરના આકર્ષણનું કેન્દ્ર છે. ભવ્ય લાકડાના દાદરના બેકડ્રોપમાં અંડાકાર આકારના બલ્બ છે જે સુંદર રીતે સર્પાકાર દાદરની વચ્ચે લટકેલા છે અને સીડીની વચ્ચે પડતા પાણીના ટીપાંનો ભ્રમ બનાવે